નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેન્કીંગ સેવાઓનો વ્યાપ નાનામાં નાના માનવી સુધી પહોચે તે માટે પાંચ હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં બેન્કની શાખાઓ શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે આ પ્રસંગે નર્મદા સરદાર સરોવરને લગતી ફિલ્મો દર્શાવાશે અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી એપ્રિલ એક હજાર નવ સો એકસઠ ના રોજ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરૂએ કેવડીયા કોલોની ખાતે નર્મદા બંધનું ખાતમૂહુર્ત કર્યું હતું પંચમહાલ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ગોધરાના ત્રિમંદિર ખાતે યોજાશે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો ધાર્મિક સંસ્થાઓના વડાસંતોમહંતો સ્વૈચ્છીક સંસ્થાઓ તથા નાગરીકો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ સંકલિત સેવા દ્વારા ગ્રાહકો ઓનલાઇન પધ્ધતીથિ તેમજ એજન્ટોના માધ્યમથી બીલોની ચુકવણી કરી શકે છે તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે ગઇકાલથી વીસ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પોષણ જાગૃતિ અભિયાનમાં પાંચ હજાર વિદ્યાર્થીઓને દૂધનું વિતરણ કરાશે રાજ્યભરમાં તમામ જિલ્લા મથકોએ મંત્રીમંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નર્મદા મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરાયું છે તંત્ર દ્વારા પાણીની રમતો તથા બોટ શોનું પણ આયોજન કરાયું છે પંદર અમદાવાદ ખાતે નર્મદાના નીરના વધામણાનો વિશેષ કાર્યક્રમ સાબરમતી નદીના તટે યોજાશે વ્યવસ્થા હેઠળ ડી સેવા વીજળીબીલ ગેસ ટેલીફોન અને પાણી જેવી પાંચ સુવિધાઓના બીલોની ચુકવણી કરી શકાતી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીયકૃત બેન્કોને વેપાર સરળીકરણ માટે સરળ ધિરાણ આપવા આહ્વાન કર્યું પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે નવ થી દસ વાગ્યા સુધી એક કલાક દરમ્યાન નદી નાળા તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહુવા તાલુકાના વડલી ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે યોજાશે જેમાં સ્વચ્છતા રેલી સામૂહિક સફાઈ કાર્યક્રમો બાદ નર્મદા કેનાલ પર નર્મદા નીરના વધામણા કરાશે આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં ઉપસ્થિત રહી નર્મદાના નીરના વધામણા કરશે દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ માસ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે ભારતીય રિઝર્વ બેંકે બી રાજ્ય સરકારે ડિજીટલ સ્ટેમ્પીંગ પદ્ધતિને અપનાવવાનો નિર્ણય કર્યો પંદર ગઇકાલે એનડીબીના ચેરમેન દિલીપ રથની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સંતુલિત પોષણ આહાર તથા દૂધ અને દૂધના ઉત્પાદનોના મહત્વ અંગે માહિતી આપતા મોબાઇલ વાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીના ભાગરૂપે રાજયભરમાં આજે નમામિ દેવી નમદિ મહોત્સવ યોજાશે પ્રધાનમંત્રી વડિયા ખાતે આકાર લઈ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ રિવર રાક્ટીંગ જંગલ સફારી પાર્ક બટરફલાય ગાર્ડન એકતા નર્સરી વિશ્વવનની મુલાકાત લઈને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભાને સંબોધન કરશે હેઠળ કામગીરી કરે છે આ સાથે મહાઆરતી પ્લાસ્ટીક મુક્ત અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ અટલ ઘાટ ખાતે વૃક્ષારોપણ પણ કરાશે રિઝર્વ બેંકે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં લઈને અવાર નવાર ચુકવવા પડતા બીલોને આવરી લેવા માટે ભારત બીલ ચુકવણી વ્યવસ્થા બી।